"સવારે ત્રણ વાગ્યાથી શરૂ કરીને રાત્રે નવ કે દસ વાગ્યા સુધી સતત પરેડ, પીઠ પર ભારે વજન અને હાથમાં મશીન ગન સાથે પહાડોમાં દોડવાનું હત રહેતું. સાથે ઇન્ડિયન નેવલ લો અને મેરી મેરિટાઇમ લો ભણવાના હતા. ત્યાંથી પાસ થઇને કોચીમાં બીજા છ મહિના સ્પેશિયલ કોસ્ટ ગાર્ડની ટ્રેનિંગ ચાલી. જ્યાં તેમને શિપ વિશે સંપૂર્ણ જાણકારી આપવામાં આવી. ત્યારબાદ પ્રથમ પોસ્ટિંગ દમણ ખાતે થયું, જ્યાં ડોનિયર પ્લેન ચલાવવાની એડવાન્સ ટ્રેનિંગ પૂરા થતાં જ મને એઝ એ પાયલોટ વિંગ્સ મળ્યા. સરહદો પર 'મેરિટાઇમ' પેટ્રોલિંગ કર્યું હતું." પૂજાએ કોસ્ટ ગાડરમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટના રેન્ક પર સ્પેશિયલાઇઝર પાયલટ તરીકે આઠ વર્ષ સુધી દેશની સેવા કરી. જેમાં 'ડોનિયર' પ્લેન દ્વારા દરિયા સરહદો અપર મેરિટાઇમ પેટ્રોલિંગ કર્યું હતું. તેમની પાસે સ્પેશિયલાઇઝ્ડ ચાર્ટ હોય. જેમાં આંતરરાષ્ટ્રીય સરહદોના લેટિટ્યૂડ, લોન્જિટ્યૂડ માર્ક કરેલા હોય છે. તેમનું મુખ્ય કામ માછીમારોની સુરક્ષા કરવાનું હતું. જો કોઇ માછીમાર ભૂલથી સરહદ તરફ આગળ વધે તો પ્લેનમાં રહેલા ખાસ સાયરન અને રેડિયો દ્વારા મેરિટાઇમ ફી ફ્રિક્વન્સી પર તેમની સાથે સીધી વાતચીત કરીને તેમને પાછા મોકલવાનું કામ કરતા હતા. બસો પચ્ચાસ જિંદગીઓ બચાવવાનું મહામિશન, એક મિશન વિશે વાત કરતા પૂજા કહે છે કે, "દરિયામાં કોઇ ડૂબી જાય તો તેને બચાવવા માટે દર વર્ષે અમારે હેલિકોપ્ટરથી દોરડા મારફતે દરિયાના તોફાની મોજાં વચ્ચે ખુદ સ્વિમિંગ કરવાની અને જાન બચાવવાની કડક તાલીમ લેવાની રહેતી. પાછળથી આ અઘરી ટ્રેનિંગ હું પોતે જ સેફ્ટી ઓફિસર તરીકે અન્ય જવાનોને કરાવતી હતી. મિશન દરમિયાન જો અમને દરિયામાં કોઇ ડૂબતા માણસનું લોકેશન મળે તો અમે પ્લેનને માત્ર પચ્ચાસ ફૂટની ઊંચાઇ પર એકદમ લો-લેવલ પર લઇ જતા અને પ્લેનનો દરવાજો ખોલીને નીચે લાઇ લાઇફ ક્રાઇ ક્રાફ્ટ ફેંકતા. જેથી હેલિકોપ્ટર આવે ત્યાં સુધી જીવ બચે. દરિયામાં જ્યારે જહાજો વચ્ચે અકસ્માત થાય ત્યારે અમે સો થી એકસો પચ્ચાસ ફૂટની નીચી ઊંચાઇએ ઉડીને ખાસ પોડ્સ દ્વારા કેમિકલ સ્પ્રે કરતા, જેથી ઓઇલનું લેયર તૂટી જાય અને દરિયાઇ જીવ સૃષ્ટિ બચે." પૂજાએ વાવાઝોડા સમયનો એક કિસ્સો પણ શેર કર્યો. તેણે જણાવ્યું, "એકવાર જ્યારે હું સિનિયર ઓફિસર તરીકે કોલકાતામાં તૈનાત હતી, ત્યારે ઓગસ્ટ મહિનામાં સમુદ્રમાં એક ભયાનક વાવાઝોડું આવ્યું હતું. આપણા ઘણા માછીમારો ભટકીને બાંગ્લાદેશની સરહદોમાં જતા રહ્યાં હતા. મેં એ કપરા સમયે આખું અઠવાડિયું દરરોજ ચાર-ચાર કલાક સુધી પ્લેનમાં ફૂલ ફયૂઅલ ભરાવીને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. લો-લેવલ પર સર્ચ કરતી વખતે આંતરરાષ્ટ્રીય સરહદના નિયમોને કારણે બાંગ્લાદેશના ઢાકા અને ઇન્ડિયાના કોલકાતાના પ્રોટોકોલ નડતા હતા. બીજા બધા પ્લેન પાછા આવી ગયા હતા પરંતુ મેં રેડિયો પર ઘણી દલીલો કરીને બાંગ્લાદેશના એટીસી પાસે મંજૂરી